ના દાયકામાં, જ્યારે કોંગ્રેસ મજૂર કાયદા અંગે ચર્ચા કરી રહી હતી તે નવા સોદાનો એક ભાગ હશે, તે બધા કામદારોનું રક્ષણ કરશે, કોંગ્રેસના દક્ષિણ સભ્યોએ તે મજૂર કાયદાઓને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો જો તેમાં ઘરેલું કામદારો અને ખેતમજૂરો માટેના સંરક્ષણો શામેલ હોય. વંશીય બાકાત રાખવાનો તે ઇતિહાસ અને અમારું સાંસ્કૃતિક અવમૂલ્યન સ્ત્રીઓ સાથે સંકળાયેલ કાર્યનું મતલબ કે હાલ લાખો મહિલાઓ દરરોજ એક દિવસ કામ પર જાય છે, અતિ સખત મહેનત કરે છે અને હજુ સમાપ્ત શકતું નથી. તેઓ સલામતીની જાળ વિના ગરીબી વેતન મેળવે છે, જેથી અમે જે મહિલાઓની ગણતરી કરી રહ્યા છીએ અમારી અને અમારા પરિવારોની સંભાળ લેવા આ કામ કરીને, તેમની પોતાની સંભાળ રાખી શકતા નથી. પરંતુ છેલ્લા વીસ વર્ષથી મારું કામ ચોકકસપણે તે બદલવા વિશે કરવામાં આવી રહ્યું છે આ નોકરીઓને સારી નોકરીઓ બનાવવાની છે જેના પર તમે ગૌરવ લઇ શકો અને તમારા પરિવારને સમર્થન આપી શકો. અત્યાર સુધીમાં, આઠ રાજ્યો ઘરેલુ કામદારોના અધિકારના બીલ પસાર કરી ચૂક્યા છે. હા. અને ઓબામાના વહીવટ દરમિયાન, અમે બે મિલિયન ઘરની કાળજી રાખનારા કામદારો લાવવામાં સફળ થયા લઘુતમ વેતન અને વધારે સમય સંરક્ષણ હેઠળ પછી પ્રથમ વખત. તાજેતરમાં જ, અમે એક નવું સુવાહ્ય ફાયદાકારક મંચ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ ઘરેલું કામદારો માટે, જેને "આલિયા" કહે છે. જે બહુવિધ ગ્રાહકો સાથે ઘરેલું કામદારો માટે પરવાનગી આપે છે પ્રથમ વખત તેમને લાભની પહોંચ આપવા માટે. તેથી ખરેખર મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. પરંતુ હું આજે રાતે દલીલ કરીશ તે સૌથી અગત્યની વસ્તુ છે જે ઘરેલું કામદારો પ્રદાન કરી શકે છે ખરેખર તો તેઓ જ આપણને શીખવી શકે છે માનવતા વિશે જ અને તે આપણા બાળકો માટે વધુ માનવીય વિશ્વ બનાવવા માટે શું લેશે તે વિશે. આત્યંતિક અનૈતિકતા હોવા છતાં, ઘરેલું કામદારો એ આપણું નૈતિક હોકાયંત્ર હોઈ શકે છે. અને તે સમજાય છે, કારણ કે તેઓ જે કરે છે તે ખૂબ મૂળભૂત છે માનવ જરૂરિયાત અને માનવતાની મૂળભૂત બાબતો. જ્યારે આપણે આ દુનિયામાં જન્મ્યા હોય ત્યારે તેઓ ત્યાં હોય છે, તેઓ આકાર આપે છે જે આપણે આ દુનિયામાં કોણ બનીએ; અમે આ દુનિયા છોડવાની તૈયારી કરી રહ્યા છીએ અને તેઓ અમારી સાથે છે. અને પરિવારો સાથેના તેમના અનુભવો ઘણા વૈવિધ્યસભર છે. તેમના પરિવારો સાથેના કેટલાક સંબંધો છે જેના માટે તેઓ કામ કરે છે તે ઉત્સાહી સકારાત્મક અને પરસ્પર સહાયક છે અને વર્ષો અને વર્ષો સુધી ચાલે છે. અને પછી વિપરીત પણ થાય છે. અને અમે જાતીય